અદ્ભુત જન્મદિવસ બલૂન શણગાર શિલ્પો સાથે તમારા મહેમાનોને મોહિત કરો. બર્થડે બલૂન ડેકોરેશન માટે ક્લાઉડબસ્ટર ફુગ્ગા ક્લાઉડબસ્ટર્સક્લોરોપ્રીન નામના સંયોજનનો ઉપયોગ કરીને બનાવેલા ફુગ્ગા છે. નામ સૂચવે છે તેમ,તમારા સામાન્ય હાથવગા ફુગ્ગાઓ નથી, પરંતુ ગેસના વિશાળ ગ્લોબ્સ છે. એક સામાન્ય ક્લાઉડબસ્ટર બલૂનનો વ્યાસ લગભગ ફૂટ હશે. તે કહેવા વગર જાય છે કે આવી ભવ્ય રચનાઓ ફક્ત આઉટડોર પાર્ટીઓમાં પ્રદર્શન માટે યોગ્ય હોઈ શકે છે. ઉપરાંત,નોંધવું જોઈએ કે તેમના કદને જોતાં,સૂચિમાં દર્શાવવામાં આવેલસૌથી મોંઘા જન્મદિવસના બલૂન સજાવટ છે, જેમાં એક બલૂનની કિંમત રૂ. સુધી વધી શકે છે. જન્મદિવસ માટેપ્રકારના બલૂન ડેકોરેશનને પસંદ કરવાથી તમારા મહેમાનો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશે. તમારા જન્મદિવસના બલૂનને ઘરે સુશોભિત કરવા માટે ભવ્ય ક્લાઉડબસ્ટર્સ શ્રેષ્ઠ જન્મદિવસ બલૂન સજાવટ વિચારો તમે જન્મદિવસના ફુગ્ગાને સજાવટ કરી શકો તેવી ઘણી અલગ અલગ રીતો છે. તેથી તમે તેને સરળ અને સુશોભિત રાખવા માંગો છો, અથવા ભવ્ય અને વૈભવી રાખવા માંગો છોથીમ સેટ કરવા માટે ફુગ્ગાઓનો ઉપયોગ કરી શકાય છે. વિવિધ પ્રકારના જન્મદિવસના બલૂન સજાવટમાંથી પસંદ કરો અને તમારી સર્જનાત્મકતાને વહેવા દો. બલૂન પિલર્સ બર્થડે બલૂન ડેકોરેશન તરીકેસરળ યુક્તિમાં આધાર તરીકે મજબૂત ધ્રુવનો ઉપયોગ કરીને ગોળ લેટેક્સ ફુગ્ગાને નળાકાર માળખામાં બાંધવાનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રીતે, ધ્રુવની આસપાસ ફુગ્ગાઓ ગોઠવવાને બદલે, કોઈ વ્યક્તિ સ્ટ્રક્ચરના તળિયે હવાથી ભરેલા ફુગ્ગાઓનો ઉપયોગ કરી શકે છે જ્યારે ટોચ માટે હિલિયમથી ભરેલા ફુગ્ગાઓનો ઉપયોગ કરી શકે છેઆ ખાતરી કરશે કે બલૂન પિલર તેના પોતાના આર્કિટેક્ચર દ્વારા સપોર્ટેડ છે. સ્તંભમાં સર્પાકાર ભ્રમ બનાવવા માટે વિરોધાભાસી રંગોના ફુગ્ગાઓનો ઉપયોગ જન્મદિવસની પાર્ટી માટે બલૂન શણગારમાં ચોક્કસ ઝિંગ ઉમેરી શકે છે. જન્મદિવસના બલૂન ડેકોરેશનમાં એમેચ્યોર માટે પણ તેઓ બાંધવા માટે પૂરતા પ્રમાણમાં સરળ છે. આવા સુંદર બલૂન થાંભલા ચોક્કસપણે તમારા જન્મદિવસના બલૂનની સજાવટમાં વધારો કરશેજન્મદિવસ બલૂન શણગાર તરીકે બલૂન કમાનો ઉપરોક્ત જન્મદિવસના બલૂન સ્તંભને અન્ય રંગીન અને ભવ્ય જન્મદિવસ બલૂન શિલ્પ બનાવવા માટે થોડો વધુ વિસ્તૃત કરી શકાય છે, તે જન્મદિવસની બલૂન કમાન છે. નક્કર કમાન માટે તમારે પહેલા બલૂનમાંથી બે થાંભલાઓને આકાર આપવાની જરૂર છે અને પછી વક્ર આકારમાં વધુ ફુગ્ગાઓ ગોઠવીને તેમની ટોચ સાથે જોડાવા માટે આગળ વધો. બલૂન કમાનનું બીજું સ્વરૂપ "મોતીનું તાર" પ્રકારનું હોઈ શકે છે જ્યાં ફુગ્ગાને મજબૂત, નક્કર પેરાબોલિક બંધારણમાં ગોઠવવાને બદલે, દરેક સળંગ બલૂન વચ્ચે અંતર જાળવવામાં આવે છે, આમ બિજ્વેલ્ડ નેકલેસ જેવું લાગે છે, અથવા નામ સૂચવે છે. મોતીની દોરી. પ્રકારની કમાન માટે, બંને છેડા જમીન પર નિશ્ચિત છે. ઘણા લોકો માને છે કે જન્મદિવસની પાર્ટીના પ્રવેશદ્વાર પર બલૂન